પીડિત ગોપાલભાઈ દરજીએ સૌ પ્રથમ દિવ્ય ભાસ્કર સમક્ષ વ્યથા ઠાલવી હતી. મહિલા માનવતા ભૂલ્યા. જો કે, ભાસ્કર રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા જવાબ આપ્યા વગર જ નીકળી ગયા હતા. આ સમગ્ર મામલાને લઈ ભારે હોબાળો થતા અંતે પોલીસે ચાર દિવસ બાદ મહિલા સામે પગલાં લેવા પડ્યા છે. આ અંગે એચ. એમ કણસાગરાએ જણાવ્યું કે "પડીકું તૂટવાનો અવાજ આવતા દિવ્યાંગે હાથ મારતા બાળકને વાગ્યો હતો. જે બાદ બાળકના પિતાએ આવીને બોલાચાલી કરી હતી. બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ દિવ્યાંગને લઈને પોલીસ સ્ટેશન આવી હતી." કોલ કરનાર પ્રતિકભાઈ બાળકને જમાડી આવવાનું કહીને નીકળી ગયા હતા. દિવ્યાંગની માહિતી લેવામાં આવી રહી હતી. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં આવીને દિવ્યાંગને અભદ્ર ભાષામાં બોલાચાલી કરી કહ્યું હતું કે, "તું પોઠીયા જેવો છે, તને કેમ દેખાતું નથી? તેમ કહી ગડદાપાટુનો માર અને લાકડી મારી હતી." આ દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે, "આ દિવ્યાંગ છે, તેમને દેખાતું નથી.' આમ છતાં મહિલા માન્યા નહીં અને મારઝૂડ ચાલુ રાખી હતી. અવાજ આવતા એસ. આર. બાવાએ જણાવ્યું કે, "કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરો તમારે કાયદો હાથમાં લેવાનો નથી." જે બાદ દિવ્યાંગને પોલીસ તેમના પાર્લર પર પરત મૂકી આવી હતી. આગળ કહ્યું, "ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હોવા છતાં તેઓ કોઈપણ સક્ષમ કે નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ફરજનું સ્થળ છોડી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન આવીને દિવ્યાંગ સાથે અસંવેદનશીલ કામ કર્યું હોવાથી તેમની વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એસ પીને રિપોર્ટ કર્યો હતો. તેમજ તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ પોલીસ ભોગ બનનારના ઘરે ગઈ હતી, પરંતુ કાલે પણ ફરિયાદ આપી નહોતી. જે બાદ આજે ફરિયાદ આપી છે. સોનલ રાઠોડ વિરુદ્ધ રાઇટ ટુ પર્સન ડિસએબિલિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ એક્ટ હેઠળ છ મહિનાથી પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. હાલમાં તપાસ કરીને પુરાવા ભેગા કરવામાં આવશે. આ તપાસમાં ગુજરાત યુનિવર્સિટીના પોલીસ કર્મચારીઓની પણ પૂછપરછ કરી નિવેદન લેવામાં આવશે. દિવ્યાંગને આ રીતે મારવા અયોગ્ય છે. કેબીન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુને માર માર્યો હતો. અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં દુકાન ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી. સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા, અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.